આપણે જાણીએ છીએ કે બચાવવા માટેનો શ્રેષ્ઠ સમયજ્યારે તમે તમારો ટેક્સ રીટર્ન મેળવો છો. તેથી અમે એ બી પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો. પ્રથમ જૂથમાં, અમે લોકોને ટેક્સ્ટ કર્યાં ફેબ્રુઆરીની શરૂઆતમાં, આસ્થાપૂર્વક પહેલાં તેઓએ તેમના કર માટે પણ ફાઇલ કરી હતી. અને અમે તેમને પૂછ્યું, "જો તમને ટેક્સ રિફંડ મળે, તમે કેટલો ટકા બચાવવા માંગો છો? " હવે આ ખરેખર સખત સવાલ છે. તેઓ જાણતા ન હતા કે શું કરશે ટેક્સ રિફંડ અથવા કેટલું પ્રાપ્ત કરો. પરંતુ અમે કોઈપણ રીતે પ્રશ્ન પૂછ્યો. બીજા જૂથમાં, અમે લોકોને પૂછ્યું તેઓએ તેમના રિફંડ મેળવ્યા પછી, "તમે કેટલો ટકા બચાવવા માંગો છો? " હવે, અહીં જે બન્યું તે છે. તે બીજી સ્થિતિમાં, જ્યારે લોકો હમણાં જ તેમનો ટેક્સ રિફંડ મળ્યો, તેઓ લગભગ સતર ટકા બચાવવા માંગતા હતા તેમના ટેક્સ રિફંડની. તે સ્થિતિમાં જ્યારે અમે લોકોને પૂછ્યું તેઓએ પોતાનો ટેક્સ ભર્યા પહેલા, બચત દરમાં વધારો થયો છે સતર ટકાથી સત્યાવીસ ટકા જ્યારે અમે ફેબ્રુઆરીમાં પૂછ્યું. કેમ? કારણ કે તમે પ્રતિબદ્ધ છો તમારા ભાવિ સ્વ માટે, અને અલબત્ત તમારા ભાવિ સ્વ સત્યાવીસ ટકા બચાવી શકે છે. બચત વર્તનમાં આ મોટા ફેરફારો આપણે બદલાયા તે હકીકતથી આવ્યું નિર્ણય પર્યાવરણ. અમે ઇચ્છીએ છીએ કે તમે સક્ષમ થાઓ તે જ શક્તિનો ઉપયોગ કરવા. તેથી એક ક્ષણ લો અને તે વિશે વિચારો તમે તમારા ભાવિ સ્વ પર સાઇન અપ કરી શકો છો આજે તમે જાણો છો કે કંઈક માટે થોડી મુશ્કેલ હશે. તમને પરવાનગી આપે છે તે એપ્લિકેશન માટે સાઇન અપ કરોઅગાઉથી બચતનાં નિર્ણયો લો. યુક્તિ છે, તમારી પાસે હોવું જોઈએ તે બંધનકર્તા કરાર. નંબર બે: સંક્રમણ ક્ષણોનો ઉપયોગ કરો તમારા લાભ માટે. અમે એક વેબસાઇટ સાથે એક પ્રયોગ કર્યો તે વૃદ્ધ વયસ્કોને મદદ કરે છે તેમના આવાસો શેર કરો. અમે સોશિયલ મીડિયા પર બે જાહેરાત ચલાવી તે જ લક્ષ્યાંકિત ચોસઠ વર્ષની વયની વસ્તી. એક જૂથમાં, અમે કહ્યું, "અરે, તમે વૃદ્ધ થઈ રહ્યા છો. શું તમે નિવૃત્તિ માટે તૈયાર છો? ઘરની વહેંચણી મદદ કરી શકે છે. " ઘરની વહેંચણી મદદ કરી શકે છે. " અને કહ્યું, "તમે ચોસઠ વર્ષના છો. શું તમે નિવૃત્તિ માટે તૈયાર છો? ઘરની વહેંચણી મદદ કરી શકે છે. " અમે તે બીજા યુદ્ધમાં શું કરી રહ્યા છીએ તે પ્રકાશિત કરી રહ્યું છે સંક્રમણ થઈ રહ્યું છે. અચાનક બધા અમે ક્લિક-થ્રુ રેટ જોયા, અને આખરે સાઇન અપ દરો, વધારો જ્યારે આપણે તે પ્રકાશિત કરીએ.